ડાંગી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગાયની પૂજા કરવામાં આવી હતી ચણા ખરીદી બોટાદ જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં ચણા અને ઘઉંના વાવેતરમાં સારો વધારો થયો છે પોલીસ કમિશનર અજય તોમર તેમજ પાંચ પોલીસ અધિકારીઓ તેમજ પીઆઈપીએસઆઈ સહિત એકસો જેટલા પોલીસકર્મીઓ તેમાં જોડાયા છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર રહેશે નહીં સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી સાત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ ઉત્પાદનોના એકતા મોલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક વેલી ઓફ ફ્લાવર યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકસ ગાર્ડનજંગલ સફારી પાર્ક સી પ્લેન સેવા જેવા નવા આકર્ષણોએ પ્રવાસીઓ ની સંખ્યા વધારી છે બીજો મેસેજ એ હતો કે રાષ્ટ્ર ત્યારેજ મજબૂત બને જ્યારે આપણે આપણી ડ્યુટી ખૂબજ સારી રીતે કરીએ અને ફિઝિકલ ફિટનેસ જાળવીએ ડોક્ટરોએ તપાસ કરતાં મોતિયાનું ઓપરેશન કરવા મોટો ખર્ચ બતાવવામાં આવ્યો હતો લોકશાહીને મજબૂત કરવા માટે સૌ એ પોતપોતાની ફરજ બજાવવી જોઈએ નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તા એ ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી શેર કરી હતી ડાંગ જિલ્લાના સાકરપાતળ ખાતે રાજ્યની સબ જુનિયર ભાઈઓ અને બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન તેર અને ચૌદ માર્ચના રોજ કરવામાં આવ્યું હતું દમણ આયુષ્માન ભારત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આયુષ્માન ભારત અંતર્ગત વિના મુલ્ય ઓપરેશન થઈ રહ્યા છે સ્ટેગ્યુ ઓફ યુનિટી બે હજાર અઢાર માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું રસ્તામાં વીસ કિલોમીટરે આરામ રાખવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા વીસ કિલોમીટરે વિરામ કરી પોલીસકર્મીઓની યાત્રા લગભગ નવ વાગ્યાની આસપાસ દાંડી પહોંચી હતી દાનમાં આપેલી ગાયોનું યોગ્ય માવજત કરી પ્રાકૃતિક ખેતી માટે છાણ અને મૂત્રનો ઉપયોગ કરવા ગાયના દૂધનો યોગ્ય ઉપયોગ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો સ્ટેગ્યુ ઓફ યુનિટી સ્ટેગ્યુ ઓફ યુનિટી ખાતે માર્ચ સુધીના અઢી વર્ષમાં પચાસ લાખ પ્રવાસીઓએ સ્ટેગ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી છે ખેડૂતો દ્વારા પોતાના ચણા અને ઘઉં વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વાહનો સાથે આવી રહ્યા છે વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી ડાંગ જિલ્લાના ખેડૂતો ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ગાયનું દાન કરવામાં આવ્યું છે રોજના એંસી હજાર થી એક લાખ મણ ચણા વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે તો ઘઉંની રોજની વીસ થી પચ્ચીસ હજાર મણની આવક થઈ રહી છે સુરતથી વાયા નવસારી થઈને દાંડી સુધીનું અંતર અઠ્ઠાવન કિલોમીટર છે દમણની ઍક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની ઑખમાં મોતિયો હોવાથી એમને ઓછું દેખાતું હતું પચ્ચીસ પાંચ ખલવાણી ઈકો ટુરિઝમ સરકારી વસાહતો બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટેના નવા પ્રોજેકટનો પણ સમાવેશ થતા પ્રવાસીઓની સંખ્યા ક્રમશઃ વધવા પામી છે અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત થી શ્રી મોદીની યાત્રાનો પ્રારંભ થશે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક પાર્કની પણ મુલાકાત શ્રી મોદી લેવાના છે કોરોના રસીનો વિકાસ અને મોટા પાયે ઉત્પાદન કરવા માટે ઝાયડસ જુથ દ્વારા ચાલતી તૈયારીઓની શ્રી મોદી સમીક્ષા કરશે ત્યારબાદ તેઓ સિરમ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત માટે પુના જવા રવાના થશે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચાર અનુસ્નાતક વિદ્યાર્થીઓની ઈઝરાયલમાં તાલીમ માટે પસંદગી થઈ છે આકાશવાણી અમદાવાદ વડોદરા।